પાર્ટનર સાથે ખુશમા સંબંધો રહેશે. સ્વાસ્થ્ય:- ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખો તથા વધુ તણાવ ન લો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે. આજે દિવસ સામાન્ય રહેશે. તમારા કાર્યો સમયસર પૂરા થઈ જશે, પરંતુ તેના મા ખૂબ વધુ મહેનત કરવી પડશે. કોઈ પારિવારિક મામલો ઉકેલાવાથી ઘરનું વાતાવરણ શાંતિભર્યું રહેશે. જો આજે કોઈ જાત્રાનું આયોજન હોય, તો તેને સ્થગિત કવો તમે રાહત આપશે. નેગેટિવ:- જલ્દી સિદ્ધ સિદ્ધિ હાંસલ કરવાના ચક્કરમાં ગેરકાનૂની કાર્ય હાથમાં ન લો. સારું રહેશે કે સમય અનુસાર પોતાના કાર્યોને અંજામ આપતા રહો. બીજાની બાબતમાં હસ્તક્ષેપ કરવો તમારી માનહાનિ કરાવી શકે છે. વાંચ્યા વગર કોઈ પણ પેપર કે દસ્તાવેજ પર સહી બિલકુલ ન કરો. વ્યવસાય:- પબ્લિકલી રિલેશન્સ તમારા માટે વ્યવસાય સંબંધિત નવા સ્ત્રો સ્ત્રોતો ઊભા કરી શકે છે. પ્રોપર્ટી ડીલિંગ સાથે સંબંધિત વ્યવસાયમાં અત્યારે મંદીની અસર રહેશે. નોકરીયાતના પ્ર પ્રમોશન યોગ બની રહ્યા છે, તેથી પોતાના કાર્યોને સાવધાની અને ધગશથી કરો. લવ:- જીવનસાસાથી તથા પરિવારજનોનો સહાય બનેલો રહેશે. તેની સાથે થોડો સમય મનોરંજન અને મોજ-મસ્તીમાં પણ પસાર થશે. સંતાનની વિવાહ સંબંધિત અડચણો પણ દૂર થશે. સ્વાસ્થ્ય:- કબજિયાત અને ગેસ સમસ્યા વધી શકે છે. ખાનપાન વ્યવસ્થિત રાખો, આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. નવી-નવી યોજનાઓ અને કાર્યો પ્રત્યે તમારી રુચિ વધશે, જે તમારા માટે લાભદાયક સાબિત થશે. ઉન્નતિના નવા આયામો પણ પ્રાપ્ત થશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ પારિવારિક સભ્યના વિવાહ સંબંધિત સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે. નેગેટિવ:- આર્થિક બાબતોમાં અછત આવાથી કંઈક તણાવ રહી શકે છે. વધુ ભીડભાડ વાળા વિસ્તારોમાં જવાથી પરહેજ કરો. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા વ્યર્થ જ તમારી આલોચના થવાથી મન દુભાશે. કોઈ પણ પ્રકારની પૈસા સંબંધિત લેણ-દેણ આજે બિલકુલ ન કરો. વ્યવસાય- વ્યવ વ્યવસાય પ્રવૃત્તિઓમાં સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે ફાઇનાન્સ સંબંધિત કંઈક નુકસાન થવાની પણ આશંકા લાગી રહી છે. યુવાનોને રોજગારની નવી તકો મળશે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. નોકરીયાત પોતાના પ્રોજેક્ટને પૂરો કરવામાં વધુ ધ્યાન આપે. લવ- પતિ-પત્ની પરસ્પર સામંજસ્ય જાળવી રાખે. પ્રેમ સંબંધો સકારાત્મક તથા મર્યાદાપૂર્ણ બનેલા રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જો ક્યાંરે પૈસા ઉધાર આપેલા છે, તો આજે પ્રયાસ કરવા પર પાછા મળી શકશે સાથે જ કોઈ ખાસ કાર્ય મન મુજબ રીતે પૂરું થવાથી શાંતિ રહેશે. જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં પણ સમય પસાર થશે. ઘરના વડીલો દ્વારા કોઈ ભેટ પણ મળી શકે છે. નેગેટિવ- પરેડ્સ પરિવાર સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી છે, તો શાંતિપૂર્ણ રીત